આમ, તમારે ઘરની બહારનો સંયોજક અને સરળ રંગ પસંદ કરવો જોઈએ. ઘરનો બાહ્ય રંગ તમારા ઘરની છતના રંગ સાથે સુસંગત હોવો જોઈએ. ઘરની બહારના રંગ સાથે તમારા દરવાજા, બારીની રેલિંગ વગેરેના રંગોને ધ્યાનમાં રાખો. વપરાયેલ બાહ્ય રંગનો પ્રકાર ઘરની બહારના રંગની ટકાઉપણું નક્કી કરશે. તેથી, બહારના રંગના લાંબા સમય સુધી ટકી રહેવા માટે સાટિન, ઇમલ્સન, એક્રેલિક અથવા એગશેલ પસંદ કરો. શ્રેષ્ઠ બાહ્ય ઘર પેઇન્ટ રંગો પસંદ કરતી વખતે હળવા રંગના બાહ્ય પેઇન્ટ માટે જાઓ. દીવાલના આછા રંગના રંગો લાંબા સમય સુધી ટકે છે અને ઘાટા રંગો કરતાં ભેજની સમસ્યા ઓછી હોય છે. ઘરની બહારની કલર ડિઝાઈન વરસાદી પાણી, ભેજ અને ભેજના સંપર્કમાં આવે છે. આથી, ઘરની બહારનો રંગ મેળવતા પહેલા તમારે વોટરપ્રૂફ કોટિંગનો ઉપયોગ કરવો જોઈએ. ઘરની બહાર માટે વાસ્તુ રંગો વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરનો રંગપ્રકાશ ઊર્જાનું એક સ્વરૂપ છે જે તે ઘરમાં રહેતા લોકોના જીવન અને ઊર્જાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે. એવું કહેવાય છે કે યોગ્ય વાસ્તુ રંગો હીલિંગ પાવર અને ઘરની અપૂર્ણતાઓને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, ઘરની બહાર માટે ચોક્કસ વાસ્તુ રંગોનો સમૂહ છે જે તમારે તમારા જીવનમાં સુખ અને સંતુલન આકર્ષવા માટે તમારા ઘરમાં અજમાવવો જોઈએ. અહીં ઘરની બહારના વાસ્તુ રંગોની સૂચિ છે. પીળો, સૂર્યનો ગરમ અને જીવંત રંગ, સકારાત્મક ઉર્જા દર્શાવે છે. તમે તમારી બહારની દિવાલને પીળો રંગ કરી શકો છો કારણ કે રંગ પાવર સાથે જોડાયેલ છે. તેથી જો ઘરની કોઈ વ્યક્તિ પ્રમોશન મેળવવા માંગતી હોય, તો ઘરના બાહ્ય ભાગ માટે વાસ્તુ રંગની તેમની તકો વધારવામાં મદદ કરી શકે છે. પીળો રંગ પરિવારના સભ્યો માટે સુખ, શાણપણ અને આશાવાદ પણ લાવે છે. ગુલાબી ઘરની બહાર માટેનો વાસ્તુ રંગ પ્રેમની દીવાદાંડી તરીકે ઓળખાય છે. તે શુદ્ધતા, પ્રેમ, આનંદ અને રોમાંસનું લક્ષણ ધરાવે છે. ગુલાબી રંગના હળવા શેડને પસંદ કરો કારણ કે તે વાસ્તુ મુજબ ઘરની બહારનો શ્રેષ્ઠ રંગ માનવામાં આવે છે. સફેદ ઘરની બહારના વાસ્તુ રંગો અનુસાર, સફેદ રંગ શુદ્ધતા, એકતા અને સંપૂર્ણતા દર્શાવે છે. જો તમે કોઈપણ દલીલો અને ઝઘડાઓથી મુક્ત ઘર મેળવવા માંગતા હો, તો ઘરની બહાર સફેદ રંગ પસંદ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારા ઘરના બાહ્ય ભાગને સફેદ રંગથી રંગવાથી માત્ર સકારાત્મક ઉર્જા નહીં પરંતુ તે વધુ મોટું દેખાશે. વાદળી આશાનું પ્રતિનિધિત્વ કરે છે અને સુખદ અને શાંતિપૂર્ણ ઊર્જા ફેલાવે છે. ઘરની બહારના રંગ માટે વાદળીના હળવા વર્ઝન માટે જાઓ. રંગ ઘરની બહારની કલર ડિઝાઇન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સ્વર્ગીય શક્તિઓને આકર્ષી શકે છે.